ડિજિટલ કરન્સી એ ચલણ છે જે ફક્ત કમ્પ્યુટર અથવા મોબાઇલ ફોનથી જ ચાલે છે કારણ કે તે ફક્ત ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આ કારણથી પૈસાની લેવડદેવડ માટે કોઈ વચેટિયાની જરૂર પડતી નથી. ઘણીવાર પૈસાની લેવડદેવડમાં વચ્ચેનો દલાલ અમુક પૈસા તમને ટ્રાન્સફર ફી ના નામે ચાર્જ કરતા હોય છે તે ડિજિટલ કરન્સીમાં કોઈ વધારાનું ચુકવણું આપવાનું રહેતું નથી. તમે જો તમારો વેપાર ધંધો ફક્ત ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ કરતા હો અથવા વારંવાર વિદેશ પ્રવાસ કરતા હો ત્યારે તમારા પૈસાને બીજાને દેશની કરન્સીમાં ચૂકવવા માટે કોઈ વધારાનો પ્રોસેસ કરવો પડતો નથી. ઇન્ટરનેટના એક જ નેટવર્ક હેઠળ બે જુદી જુદી કરન્સીઓમાં લેવડદેવડ કરવી હોય તો ડિજિટલ કરન્સી એ ઉત્તમ ઉપાય છે. અત્યારે તમે જે કિસ્સામાં કાગળની ચલણી નોટ રાખો છો એને અંગ્રેજીમાં ફિયાટ કરન્સી કહેવ છે, આ ચલણી નોટ છાપવા માટે તથા એને જાળવવા માટે અને સમય સમયે એનું ઉત્પાદન કરવામાં તથા ફાટી ગયેલી ચલણી નોટો બદલવામાં દરેક દેશોની સરકારને ખૂબ ખૂબ ખર્ચો થાય છે પણ ડિજિટલ કરન્સીને કારણે આ ખર્ચ લગભગ નહિવત થઈ જાય છે. સરકારને ડિજિટલ કરન્સી જાળવવા માટે ફ્કત એક નેટવર્કની જ જરૂર હોય છે એથી વધુ કંઈ કરવાનુ રહેતું નથી. ડિજિટલ કરન્સીનો સૌથી મોટો ફાયદો ભ્રષ્ટાચાર રોકવામાં મદદ થાય તે છે. ઘણી વખત તમારે સરકારી કામકાજ અથવા કોઈ જરૂરી કામ માટે પૈસા ભરવાના હોય તો કચેરીમાં એ કામ માટે ભાવતાલ થઈ શકે છે પણ એ જ પૈસા જો તમારે ડિજિટલ કરન્સીના રૂપમાં સ્વરૂપે ઓનલાઈન ભરી દેવાના હોય તો ત્યાં વચેટિયાઓને ભ્રષ્ટાચાર કરવાની તક મળતી નથી. આ ડિજિટલ કરન્સીનો આ સૌથી મોટો ફાયદો છે. ડિજિટલ કરન્સી ને લીધે કાગળની ચલણી નોટોમાં થતી છેતરપિંડી અથવા તો બનાવટી નોટો જે વ્યવહારમાં આવી જાય છે એની ઉપર સખત કાબુ મેળવી શકાય છ. બેંકમાં તમારે બે ત્રણ ખાતા હોય તો બેંકમાં ધક્કો ખાધા વગર ડિજિટલ કરન્સી એક ખાતામાંથી બીજા ખાતામાં ઝડપથી ટ્રાન્સફર કરી શકાય છે. ઘણી વખત કોઈ ના પૈસા લેણા નીકળતા હોય અને ચેકથી પૈસા આપે તો ચેક બાઉન્સ થવાની શક્યતા રહેલી છે પણ તમે એ પૈસા ડિજિટલ કરન્સીમાં માગો તો ચેક્ બાઉન્સ થવા માટેની કોઈ શક્યતા રહેતી નથી. તમારા દેશમાં ડિજિટલ કરન્સી જેટલી વધશે એટલો આંતરરાષ્ટ્રીય વેપાર વધશે અને એથી દેશને ઘણો ફાયદો થાય છે, અને એથી જ અત્યારની ભારત સરકાર ડિજિટલ કરન્સી માટે ખૂબ ઉત્તેજન આપે છે અને સાથે સાથે ઓનલાઇન જે છેતરપિંડીઓ થાય છે એ માટે પણ તમને સતત સાવચેત રહેવાનું જણાવે છે.